જન્મદિવસ હંમેશા એક અનોખો ઉત્સાહ સાથે લઈને આવે છે. શું તમે જાણો છો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શરૂ થતાં જાન્યુઆરી મહિનામાં કયા ગુજરાતી સાહિત્યકારોનો જન્મ દિવસ આવે છે? અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સૌરાષ્ટ્રના વલભીપુરના વતની હતા. તેમનો જન્મ પેલી જાન્યુઆરી ઓગણીસો બાર ના રોજ અમરેલી ખાતે થયો હતો. તેમણે તેમના લેખનની શરૂઆત સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકથી કરી હતી. ત્યારબાદ તેઓએ અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતહાસ' એ એમનું શ્રેષ્ઠ સર્જન છે. એમ.એ કર્યા બાદ અધ્યાપક તરીકે તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી. એમને 'તારતમ્ય વિવેચન સંગ્રહ'ના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ઉન્મિલન માટે નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઉમર અહમદ ઉઘરાતદાર એક જાણીતા વાર્તાકાર અને ગઝલકાર જે અઝીઝ ટંકારવીના નામે પણ જાણીતા છે. તેઓનો જન્મ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં એક જાન્યુઆરી ઓગણીસો ચુમાલીસ ના રોજ થયો હતો. બી. એ, બી. તેઓ ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે. બે હજાર તેર માં તેણીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 'વરતારો' તેઓનો બે હજાર આઠ માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, ત્યારબાદ બે હજાર તેર માં 'જન્મારો' પ્રકાશિત થયો હતો જેને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ કવિતા સંગ્રહનો પુરસ્કાર મળ્યો હતો. સ્ત્રીની લાગણીઓ અને સ્ત્રી જીવનના વિવિધ તબક્કાઓનું તેઓ સુંદર વર્ણન કરે છે. હાલમાં તેઓ દિવ્ય ભાસ્કરના સીટી ભાસ્કરમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે બે હજાર બાર થી કાર્યરત છે. જોરાવરસિંહ જાદવનો જન્મ દસ જાન્યુઆરી ઓગણીસો ચાલીસ ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. આ સિવાય તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક, એન. સી. ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર એનાયત થયા છે. તેમનો જન્મ જાન્યુઆરી અગિયાર , ઓગણીસો સતાવીસ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે. ઓગણીસો પંચ્માંયાસી માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો. એમની પ્રથમ રચના 'પ્રેમનાં આંસુ' વાર્તા છે. 'જન્મભૂમિ' પત્રએ યોજેલી